હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી, દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, સેના એલર્ટ પર હિમાચલ પ્રદેશથી લઇને ઉત્તરાખંડ અને પંજાબથી લઇને દિલ્હી સુધી છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદનો કહેર ચાલું છે. હવામાન વિભાગે આજે ચોવીસ રાજ્યોમાં વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હિમાચલ પ્રદેશથી લઇને ઉત્તરાખંડમાં બુધવારે ભારે વરસાદની આગાહી છે. જેના પગલે બંને રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ હરિયાણા, રાજસ્થાન અને બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આશા સેવાઈ રહી છે. જેના પગલે આ રાજ્યોમાં પણ એલર્ટ રજૂ કર્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રૂપિયામાં વેપારની શરુઆત, જાણો શું થશે ફાયદો? બાંગ્લાદેશ બેંકના ગવર્નર અબ્દુર રઉફ તાલુકદારે રુપિયામાં વેપારની શરુઆતને એક મહાન યાત્રામાં પહેલું પગલું ગણાવ્યું છે. તેમણે લોન્ચિંગ સમારોહમાં કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપારની સ્થિતિમાં ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળી છે. આજનો ઇતિહાસ બાર જુલાઇ:- આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ, નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત મલાલા યુસુફઝઈનો જન્મદિન આજે બાર જુલાઇએ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ છે, જે નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત મલાલા યુસુફઝઈના જન્મ દિવસે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકો. આજનું રાશિફળ. મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન:- સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. આ મિશન ચૌદ જુલાઈના રોજ બપોરે બે ને પાંત્રીસ મિનિટે લોન્ચ કરવામાં આવશે. ઈસરોનું નવું હેવીલિફ્ટ લોન્ચ વ્હીકલ એલ.વી.એમ.-ત્રણ ચંદ્ર મિશનને અંજામ આપશે. ચંદ્રયાન-ત્રણ, ચંદ્રયાન-બેનું બીજું રૂપ છે. જેનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર એક લેન્ડર અને એક રોવર પહોંચાડીને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની ક્ષમતા પ્રદર્શિત કરવાનું છે. ચંદ્રયાન-બે મિશન છ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ સમાપ્ત થઇ ગયું હતું. અત્યાર સુધી માત્ર ત્રણ દેશો જ ચંદ્ર પર ઉતરી શક્યા છે. જેમાં અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ થશે. એલ.વી.એમ.-ત્રણ કે લોન્ચ વ્હીકલ માર્ક-ત્રણ ઇસરો દ્વારા વિકસિત એક ત્રણ તબક્કાનું મધ્યમ-લિફ્ટ પ્રક્ષેપણ યાન છે અને તે અગાઉ જી.એસ.એલ.વી. માર્ક તરીકે ઓળખાતું હતું. અંતરિક્ષ એજન્સીનું આ સૌથી શક્તિશાળી રોકેટ છે અને તેનો ઉપયોગ ચંદ્રયાન-ત્રણ મિશનને લોન્ચ કરવા માટે કરવામાં આવશે. આ વાહન તેતાલીસ પોઈન્ટ પાંચ મીટર લાંબું છે અને તેનો વ્યાસ ચાર મીટર છે.